હવે જ્યારે આવું થાય છે દેશવ્યાપી કક્ષાએ, તે રાષ્ટ્રોમાં ક્રાંતિ લાવી શકે છે. દક્ષિણ કોરિયા પરની અસર ધ્યાનમાં લો. હવે ના દાયકામાં, દક્ષિણ કોરિયા હતો ભયાવહ ગરીબ દેશ અને તે ખૂબ જ ભ્રષ્ટ હતું. દેશનું શાસન હતું એક સરમુખતિહારશાહી સરકાર દ્વારા અને લાંચ અને ઉચાપત કરવામાં રોકાયેલા છે. હકીકતમાં તે સમયે અર્થશાસ્ત્રીઓ જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયા ગરીબીમાં ફસાયેલો છે અને તેઓએ તેનો ઉલ્લેખ કર્યો "આર્થિક બાસ્કેટ કેસ" તરીકે. જ્યારે તમે જોયું દક્ષિણ કોરિયાની સંસ્થાઓમાં ના દાયકાના અંતમાં પણ તેઓ કેટલાક ગરીબ લોકોની સાથે હતા અને સૌથી વધુ ભ્રષ્ટ આફ્રિકન દેશો તે સમયે. પરંતુ કંપનીઓ જેવી કે સેમસંગ, કિયા, હ્યુન્ડાઇ નવીનતાઓમાં રોકાણ કર્યું, જેનાથી વસ્તુઓ ,વસ્તુઓ વધુ પોસાય ઘણા વધુ લોકો માટે, દક્ષિણ કોરિયા આખરે સમૃદ્ધ બન્યું. જેમ જેમ દેશ સમૃદ્ધ થયો, તે સંક્રમણ કરવામાં સક્ષમ હતું સરમુખતિહારશાહી સરકાર તરફથી લોકશાહી સરકારને અને ફરીથી રોકાણ માટ કરવા માટે સક્ષમ છે તેની સંસ્થાઓ બનાવવામાં અને આ ખૂબ જ ચૂકવણી કરી છે. ઉદાહરણ તરીકે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પચીસ વર્ષની જેલની સજા ફટકારી હતી. ભ્રષ્ટાચાર સંબંધિત આરોપો પર દાયકાઓ પહેલાં આવું ક્યારેય ન બન્યું હોય જ્યારે દેશ ગરીબ હતો અને સરમુખતિહારશાહી સરકાર દ્વારા શાસન કર્યું. હકીકતમાં, આપણે સૌથી વધુ સમૃદ્ધ તરફ જોયું દેશો આજે, જે અમને મળ્યું હતું, તેઓ ભ્રષ્ટાચાર ઘટાડવામાં સક્ષમ હતા. તેઓ સમૃદ્ધ બન્યા હતા પહેલાં નહીં અને તેથી તે અમને ક્યાં છોડી દે છે હું જાણું છું કે તે સંભળાય છે જેવું હું કહી રહ્યો છું .આપણે ફક્ત ભ્રષ્ટાચારની અવગણના કરવી જોઈએ. તે હું જે કહી રહ્યો છું તે જ નથી. હું શું સૂચવી રહ્યો છું, જોકે, તે ભ્રષ્ટાચાર છે, ખાસ કરીને ગરીબ દેશોમાં મોટાભાગના લોકો માટે, કામ આસપાસ છે. તે ઉપયોગિતા છે એવી જગ્યાએ જ્યાં ઓછા હોય સમસ્યા હલ કરવા માટે વધુ સારા વિકલ્પો. નવીનતાઓમાં રોકાણ જે બનાવે છે ઉત્પાદનો વધુ પરવડે તેવા ઘણા લોકો માટે માત્ર આ અછત પર હુમલો કરે છે પરંતુ તે ટકાઉ બનાવે છે. આવકનો સ્ત્રોત સરકારો ફરીથી રોકાણ કરવા માટે અર્થશાસ્ત્ર માં તેમની સંસ્થાઓને મજબૂત કરવા. આ જટિલ ગુમ થયેલ ભાગ છે આર્થિક વિકાસ પઝલ માં કે આખરે કરશે ભ્રષ્ટાચાર ઘટાડવામાં અમારી સહાય કરો. તમે જાણો છો, મેં આશા ગુમાવી છે નાઇજીરીયામાં જ્યારે હું સોળ વર્ષની હતી. અને કેટલીક રીતે, દેશ ખરેખર ખરાબ થઈ ગયું છે. વ્યાપક ગરીબી ઉપરાંત અને સ્થાનિક ભ્રષ્ટાચાર, નાઇજીરીયા હવે ખરેખર વ્યવહાર કરે છે આતંકવાદી સંગઠનો સાથે બોકો હરામની જેમ. પરંતુ કોઈક રીતે, હું વધુ આશાવાદી